રંગોમાં જગ્યાને જગ્યા ધરાવતી કે ખેંચાણવાળી બનાવવાની શક્તિ હોય છે. તેથી, તેમને કાળજીપૂર્વક પસંદ કરવું મહત્વપૂર્ણ છે. તમારા નાના ઘરની આંતરિક ડિઝાઇનને વધારવા અને સ્થળને વિશાળ બનાવવા માટે, સફેદ અને ક્રીમ જેવા હળવા શેડ્સનો ઉપયોગ કરો. આછો ગુલાબી, પીળો અને લીલો રંગ પણ સમાન અસર બનાવે છે. શેડ્સ સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. નાના ઘરોમાં લાલ, વાયોલેટ અને બ્રાઉન જેવા ઘાટા રંગોનો ઉપયોગકરવો જોઈએ. નાના ઘરની ડિઝાઇનને અરીસાઓ વડે વિશાળ બનાવોમિરર્સ નાના ઘરની ડિઝાઇનને વિશાળ બનાવે છે નાની જગ્યાઓમાં અરીસાઓ ઉમેરવાથી તે મોટા, તેજસ્વી અને વધુ સારા દેખાય છે. જો તમારી પાસે નાનું ઘર છે, તો તમારેભ્રમ બનાવવા માટે આકર્ષક અને ટ્રેન્ડી મિરર્સનો ઉપયોગ કરવો જોઈએ. તેમને વિવિધ વાતાવરણ સાથે મેળ ખાતી સુંદર ફ્રેમવાળા અરીસાઓની વિશાળ વિવિધતા મળશે. મિરર્સ નાના ઘરની આંતરિક ડિઝાઇનનો અભિન્ન ભાગ છે, પરંતુ ફ્રેમ્સ જબરજસ્ત અથવા ખૂબ ભારેહોવી જોઈએ. જો કે,એક્સેસરીનો વધુ પડતો ઉપયોગ કરશો નહીં. યોગ્ય પ્રકારની અસર બનાવવા માટે તેને વ્યૂહાત્મક રીતે મૂકવું જોઈએ. બહુહેતુક ફર્નિચરનાના ઘરની ડિઝાઇનની ભાવના છે બહુહેતુક ફર્નિચર નાના ઘરની ડિઝાઇનમાં જગ્યા બચાવે છે અન્ય ઉત્તમ નાના ઘરની ડિઝાઇનનો વિચારબહુહેતુક ફર્નિચરનો ઉપયોગ છે. તમને ઘણા ફર્નિચરના ટુકડા મળશે જેનો બહુવિધ ઉપયોગો છે. દાખલા તરીકે, તમને સારી ગુણવત્તાવાળા સોફા કમ બેડ મળશે. તમે તેનો દિવસ દરમિયાન સોફા તરીકે ઉપયોગ કરી શકો છો અને જ્યારે સૂવાનો સમય હોય ત્યારે તેને બેડમાં બદલી શકો છો. તેવીરીતે, તમે લાકડાના લાંબા કેબિનેટને પસંદ કરી શકો છો જે તમારી આવશ્યક વસ્તુઓને સંગ્રહિત કરી શકે છે અને તેનો ઉપયોગ તમારા અભ્યાસ અથવા કાર્ય ડેસ્ક તરીકે પણ થઈ શકે છે. દિવાલ-માઉન્ટેડ કેબિનેટનાના ઘર માટે વધુ સારી પસંદગી છે. ફર્નિચરને સમજદારીપૂર્વક પસંદ કરવાથી ઘરની તેજસ્વી નાની આંતરિક ડિઝાઇન બનાવવામાં ઘણી મદદ મળી શકે છે. દાખલા તરીકે, જગ્યા બચાવવા માટે બંક બેડનો ઉપયોગ કરવોપણ સારો વિચાર છે, ખાસ કરીને જો તમારી પાસે બાળકો હોય. સ્માર્ટ સ્મોલ હાઉસ ડિઝાઇન માટે સ્પ્લિટ લેવલ આઈડિયા સ્પ્લિટ લેવલ સોલ્યુશન્સ નાના ઘરની ડિઝાઇનમાં વધુ જગ્યા ઉમેરી શકે છે જો તમારી પાસે પૂરતી સંખ્યામાં રૂમ નથી, તોનાનકડા ઘરની ડિઝાઇનનો વિચાર તમને જરૂર છે. તમે નાની વિભાજીત જગ્યામાં એક નાની ઓફિસ સ્પેસ અથવા સ્ટડી રૂમ બનાવી શકો છો. તમે સૂવા માટે, આરામ કરવા અથવા ધ્યાન કરવા માટે આરામદાયક સ્થળ બનાવવા માટે અહીં પથારી પણ ફેલાવી શકો છો. ઘરનાભાગમાં પ્રવેશવા માટે સીડીનો ઉપયોગ કરી શકાય છે. ઍક્સેસની સરળતા માટે તમેજગ્યા પર કાયમી ધોરણે સીડી લગાવી શકો છો. સ્પ્લિટ-લેવલ ડિઝાઇનને સામેલ કરવા માટે અનુભવી ઇન્ટિરિયર